હર્ષવર્ધનકોવિડ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી અગિયાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આ આરોગ્યમંત્રીઓ સાથે આજે બેઠક યોજી પરિણામે હાલ સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને સત્તર લાખ એકવીસ હજાર જેટલી થઇ છે કેનિ રય આરોગ્ય મંત્રીએ રાજ્યોને જણાવ્યું કે તેને રાજ્યના સૌથી વધુ પ્રભાવિત પાંચ થી છ શહેરો પર વિશેષ ધ્યાન આપવામાં આ આવે આ તબક્કામાં છ જીલ્લાઓની પિસ્તાલીસ બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ વર્ધમાન જીલ્લાના આસનસોલ ખાતેની ચૂંટણી સભાને સંબોધન કર્યું રેડડેસીવીરનો પુરવઠો સુરક્ષિત કરવો એ સરકારની પ્રાથમિકતા છે પ્રધાનમંત્રીએ દેશમાં કોવિડઓગણીસ ની સ્થિતી વિશે આ મહિને ગઇ આઠ તારીખે મુખ્યમંત્રીઓ સાથે અને ચૌદ તારીખે રાજ્યપાલો તથા ઉપરાજ્યપાલો સાથે ચર્ચા વિચારણા કરી હતી તેઓને એક હજાર નવ સો ઇઠ્યોતેર માં આવેલી ફિલ્મ સારંગે બાઉમાં અભિનય માટે રાષ્ટ્રીય ફિલ્મ શ્રી મલિકે આરોપ મૂક્યો હતો કે નિકાસકાર સોળ કંપનીઓ પાસે વીસ લાખ રેડડેસીવીરના ડોઝ પડ્યા છે એ સાથે નવ રાજ્યોની વિધાનસભાની બાર બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું રસી ઉત્પાદકોને બાયોટેકનોલોજી વિભાગ અનુદાન સહાય પેટે આર્થિક સહાય આપે છે વિવિધ મંત્રાલયોના ટોચના અધિકારીઓને આ બેઠકમાં ભાગ લેશે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના આરોપોના વિટર મારફતે વળતો જવાબ આપતાં આમ જણાવ્યું હતું આમ હવે કુલ પાંચ મહિનાથી વીસ થી વધુ કંપનીઓએ અનુમતી આપી દેવામાં આવી છે તેમણે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વિકાસના પંથમાં અડચણ રૂપ બની રહ્યા હોવાનો આરોપ મુક્યો હતો આંધ્રપ્રદેશના તિરુપતિ અને કર્ણાટકની બેગલાગામ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન થઇ રહ્યુ છે દેશમાં કેસ વધી રહ્યા છે તેમ છતાં મેડિકલ ઓક્સિજન અને વેલીલેટર જેવી જરૂરી ચીજોની અછત નથી આજે પણ વધુ અઢાર હજાર સાત સો ગિયાર દર્દી સાચા થઇ જતાં તેમને રજા આપવામાં આવી છે પ્રધાનમંત્રી કોરોના સમીક્ષા દેશમાં કોવિડ ઓગણીસ અને રસીકરણની સ્થિતીની સમીક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે એક બેઠક બોલાવી છે જ્યારે ગરીબ વર્ગના દેશોને માત્ર કોવિડ ઓગણીસ ના સંક્રમણને પહોંચી વળવા માટે એક હજાર પથારી ધરાવતી હોસ્પિટલમાં વધારાના બાંસો પચાસ આઇસીયુ પથારીની સુવિધા વધારવામાં આવી છે મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના સતત પ્રયાસોને કારણે રેમડેસીવિર ઇન્જકશનના ભાવમાં દવા બનાવતી કંપનીઓ દ્વારા મોટો.